કેટલાક મેગાલિથનું વજન સેંકડો ટન હોય છે છતાં તે સંપૂર્ણ રીતે ફિટ થાય છે. પ્રાચીન ધ્વનિ ધ્વનિશાસ્ત્ર મંદિરોમાં ગુંજતા અવાજોને વધારે છે. ઈલોરા ગુફાઓ ખડકમાંથી ઉપરથી નીચે કોતરેલી હતી. પ્રાચીન લિપિઓ હજુ સુધી સમજાઈ નથી. સિંધુ ખીણની સંસ્કૃતિમાં અદ્યતન ડ્રેનેજ સિસ્ટમ્સ હતી. મોહેંજો-દારોમાં આધુનિક શહેરોને ટક્કર આપતું શહેરી આયોજન હતું. પ્રાચીન કેલેન્ડરો ગ્રહણો અને ઋતુઓની આગાહી કરતા હતા. ઇજિપ્તવાસીઓ ઘણા સમય પહેલા ત્રણ સો પાસઠ દિવસના કેલેન્ડરનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન ગ્રીકોએ પરમાણુઓનો સિદ્ધાંત રજૂ કર્યો. ડેમોક્રિટસે અવિભાજ્ય કણોની કલ્પના કરી હતી. પ્રાચીન રસાયણશાસ્ત્ર રાસાયણિક પરિવર્તનનો સંકેત આપતું હતું. મૂળ સંસ્કૃતિઓ ઇકોસિસ્ટમ્સને ઊંડાણપૂર્વક સમજતી હતી. પ્રાચીન ખેડૂતો ટકાઉ ખેતી કરતા હતા. સદીઓ પહેલા ટેરેસવાળી ખેતી ધોવાણ અટકાવતી હતી. પ્રાચીન સિંચાઈ પ્રણાલીઓ આજે પણ કાર્યરત છે. શરૂઆતની સંસ્કૃતિઓ પાણીના પૈડા જેવી નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરતી હતી. પ્રાચીન દંતકથાઓ ખગોળીય ઘટનાઓને એન્કોડ કરે છે. પૂરની દંતકથાઓ અસંબંધિત સંસ્કૃતિઓમાં જોવા મળે છે. મૌખિક પરંપરાઓએ હજારો વર્ષોથી ઇતિહાસને સાચવી રાખ્યો છે. પ્રાચીન ભાષાઓમાં એવા ખ્યાલો છે જેનો અનુવાદ ન થઈ શકે. પવિત્ર ભૂમિતિ વૈશ્વિક સ્તરે દેખાય છે. પ્રાચીન કલા અને સ્થાપત્યમાં ગોલ્ડન રેશિયો દેખાય છે. પ્રાચીન સંગીત પ્રણાલીઓ આધુનિક સંગીત શૈલીઓને પ્રભાવિત કરે છે. સંસ્કૃત ભાષા પ્રોગ્રામિંગ ભાષાની જેમ રચાયેલી છે. પ્રાચીન ગ્રંથો ચેતનાની ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે. ધ્યાન પ્રથાઓ હજારો વર્ષ પહેલાં ઉદ્ભવી હતી. પ્રાચીન યોદ્ધાઓ મનોવૈજ્ઞાનિક યુદ્ધનો ઉપયોગ કરતા હતા. ગ્રીક અગ્નિ એ પ્રારંભિક રાસાયણિક હથિયાર હતું. રોમન લશ્કરી યુક્તિઓનો આજે પણ અભ્યાસ કરવામાં આવે છે. પ્રાચીન કાયદા પ્રણાલીઓએ આધુનિક ન્યાયને આકાર આપ્યો. હમ્મુરાબીના કોડે કાનૂની સિદ્ધાંતોને ઔપચારિક બનાવ્યા. પ્રાચીન વેપાર માર્ગો ખંડોને જોડતા હતા. સિલ્ક રોડે ઘણા સમય પહેલા વૈશ્વિક વિનિમયને સક્ષમ બનાવ્યું હતું. શરૂઆતની લેખન પ્રણાલીઓ જ્ઞાન ટ્રાન્સફરને સક્ષમ બનાવતી હતી. એલેક્ઝાન્ડ્રિયા જેવા પુસ્તકાલયોમાં વિશાળ જ્ઞાનનો સંગ્રહ હતો. પ્રાચીન વાર્તા કહેવાથી ફિલસૂફી જળવાઈ રહી. મહાકાવ્યોમાં ઇતિહાસ અને મૂલ્યોનો સમાવેશ થતો હતો. પ્રાચીન શિક્ષણ પ્રણાલીઓ વિદ્વાનોને સખત તાલીમ આપતી હતી. તત્વજ્ઞાનીઓએ અસ્તિત્વ અને નીતિશાસ્ત્ર પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. સોક્રેટીસે વાસ્તવિકતા પર જ પ્રશ્ન ઉઠાવ્યો. પ્લેટોએ આદર્શ સમાજોની કલ્પના કરી હતી. પ્રાચીન વિચારકોએ સિમ્યુલેશન જેવા વિચારોની શોધ કરી. આધ્યાત્મિક પરંપરાઓએ આંતરિક ચેતનાનો અભ્યાસ કર્યો. ઋતુચક્ર સાથે સુસંગત પ્રાચીન ધાર્મિક વિધિઓ. સ્થાપત્ય ઘણીવાર વૈશ્વિક માન્યતાઓનું પ્રતિબિંબ પાડે છે. પ્રાચીન લોકો પ્રકૃતિ સાથે સુમેળમાં રહેતા હતા. તેઓ કુદરતી સામગ્રીનો ટકાઉ ઉપયોગ કરતા હતા. પ્રાચીન રંગો અને રંગદ્રવ્યો હજુ પણ જીવંત છે. કેટલીક પ્રાચીન તકનીકો હજુ પણ પુનઃઉત્પાદન કરી શકાતી નથી. ખોવાયેલી સંસ્કૃતિઓ ભૂલી ગયેલા જ્ઞાનને પકડી શકે છે. પ્રાચીન નકશા અન્વેષિત